તાજા કોટિંગ્સ લાગુ કરો. ઘણા વર્ષોના ઉપયોગ પછી સ્ટીલના દાદર પરનું કોટિંગ ઝાંખું અથવા છાલવા લાગે છે. તેનાથી સ્ટીલની સપાટી ખરબચડી બની જાય છે. કાટ અને કાટને ટાળવા માટે, મેટલ વેનિશનો તાજો કોટ લાગુ કરવાની ભલામણ કરવામાં આવે છે. તમારા સ્ટીલ દાદરની ગુણવત્તા અને દેખાવને પુનઃસ્થાપિત કરશે. સીડી માટે સ્ટીલ ગ્રીલ ડિઝાઇન શૈલી, શક્તિ અને સલામતીનું અનોખું સંયોજન પ્રદાન કરે છે. અને જ્યારે થોડી સર્જનાત્મકતા સાથે ડિઝાઇન કરવામાં આવે છે, ત્યારે તેઓ કોઈપણ સજાવટ થીમને દોષરહિત રીતે મેચ કરી શકે છે. વધુમાં, સ્ટીલની રેલિંગ તેની ટકાઉપણું માટે જાણીતી છે અને તેને ઓછી જાળવણી અને જાળવણીની જરૂર છે. તમારા ઘરમાં લાવણ્ય ઉમેરવા માટે સ્ટીલ ગ્રીલ ડિઝાઇન ખરેખર એક કાલાતીત પસંદગી છે. આશા છે કે તમે આમાંથી કોઈપણ ડિઝાઇન વિકલ્પોમાંથી તમારી પસંદગી મેળવશો. સ્ટીલ ગ્રીલ ડિઝાઇન આઇડિયાનો સમાવેશ કરવો સરળ છે. સુરક્ષાની દ્રષ્ટિએ તેનો હેતુ પૂરો પાડે છે અને બજારમાં સૌથી વધુ બજેટ વિકલ્પ છે. તમે ચાલતા મૂળભૂત સ્ટીલ કેબલ સાથે ખોટું કરી શકો પરંતુ કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન્સનું પોતાનું વશીકરણ પણ હોય છે. દાદર પર વધુ બ્લોગ્સ સીડીની બહાર ડિઝાઇન વિચારો. આધુનિક દાદર ગ્રીલ ડિઝાઇન વિચારો. નાની જગ્યા સીડી ડિઝાઇન, ડુપ્લેક્સ હાઉસ માટે સીડી ડિઝાઇન, ગ્રેનાઈટ સીડી ડિઝાઇન, આયર્ન સીડી ડિઝાઇન વિચારો. વાસ્તુ પ્રમાણે બાળકોના રૂમ માટે શ્રેષ્ઠ કલર કોમ્બિનેશન અને ટાળવા માટેના રંગો. બાળકો તેમના રૂમમાં નોંધપાત્ર સમય વિતાવે છે. તેમનું હોમવર્ક પૂર્ણ કરવામાં, રમવામાં અને સૂવામાં. આખી દુનિયામાં તે એક એવી જગ્યા છે જ્યાં તેઓ સૌથી સુરક્ષિત અનુભવે છે. તેથી, બાળકોના રૂમનો રંગ વાસ્તુ અનુરૂપ હોવો જોઈએ. આને સુનિશ્ચિત કરવાનો એક સરળ રસ્તો છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ રંગોની પસંદગી કરવી. લેખ વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા બાળકોના રૂમ માટે પસંદ કરી શકે તેવા કેટલાક શ્રેષ્ઠ અને સૌથી ખરાબ રંગો પર એક નજર નાખે છે. વાસ્તુ મુજબ બાળકોના રૂમના શ્રેષ્ઠ રંગો, બાળકોના શયનખંડ માટેના રંગ સંયોજનો વાતાવરણમાં સકારાત્મક અને સર્જનાત્મક વાતાવરણ લાવવામાં મદદ કરશે. લીલો રંગ સફળતા દર્શાવે છે. તે હકારાત્મકતા પણ લાવે છે અને વૃદ્ધિમાં મદદ કરે છે. જો તમારી પાસે નાના બાળકો છે, તો રંગ સાથે જવાનું તમારા બાળકોને હંમેશા તેજસ્વી બાજુ પર જોવામાં મદદ કરી શકે છે. લીલો રંગ વૃદ્ધિ અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. વાદળી રંગ જો તમારી પાસે ઓવરએક્ટિવ બાળક હોય, તો તમારે તેના રૂમને વાદળી રંગમાં રંગવો જોઈએ. વાસ્તુ અનુસાર કેટલાક રંગો શાંત અસર કરે છે અને રૂમની ઊર્જા બદલી શકે છે.